તે જ સમયે, બિપાશા બાસુ અને જોન અબ્રાહમની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.જોન અબ્રાહન અને બિપાશા બાસુએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પણ શું થયું કે આ બંને એકબીજાથી કાયમ માટે અલગ થઈ ગયા. તો આવો જાણીએ જોન અબ્રાહમ અને બિપાશા બાસુની અધૂરી લવ સ્ટોરી વિશે. ફિલ્મ 'જિસ્મ'ના અ શૂટિંગ દરમિયાન બિપાશા અને જોન રીલેશન મા હતા. તમને જણાવી દઈએ કે અભિનેતા જોન અબ્રાહમ અને અભિનેત્રી બિપાશા બાસુએ ફિલ્મ "જિસ્મ " માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં કામ કરતી વખતે તેમનો પ્રેમ ખીલ્યો હતો. આ પછી બંનેએ સત્ય સ્વીકાર્યું અને લિવ-ઈનમાં રહેવા લાગ્યા. આ કપલ માત્ર ફિલ્મમાં સાથે જોવા મળ્યું ન હતું, પરંતુ તેઓ પાર્ટી ઈવેન્ટ્સ અને ઘણા એવોર્ડ શોમાં પણ સાથે જોવા મળ્યા હતા. ચાહકો આ સુંદર કપલને ખૂબ પસંદ કરવા લાગ્યા. જોન અબ્રાહમ અને બિપાશા બાસુ વચ્ચે થોડા વર્ષો સુધી બધું બરાબર ચાલ્યું. બંનેએ એકબીજા સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની જોડી પણ પડદા પર સુપરહિટ રહી હ રહી જ પરંતુ લોકો આતુરતાથી રાહ પણ જોતા હતા કે આ બંને ક્યારે લગન કરશે. આ બંનેની જોડી એટલી સુંદર હતી કે બધા માનવા લાગ્યા કે હવે તેઓ જલ્દીથી લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ જોન અબ્રાહમ અને બિપાશા બાસુએ બ્રેકઅપ કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોન અબ્રાહમ અને બિપાશા બાસુનું બ્રેકઅપ કેમ થયું. આ અંગે ઘણી અટકળો બ લગાવવામાં આવી રહી છે, પરંતુ સમાચારો અનુસાર, બિપાશા બાસુ ઈચ્છતી હતી કે તે અને જોન લગ્ન કરે પરંતુ બિપાશા બાસુની વારંવાર વિનંતી કરવા છતાં જોન લગ્ન કરવા માટે ગંભીર ન હતો. આ જ કારણ હતું કે નવ વરસથી ગંભીર સંબંધમાં હોવા છતાં બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે જોન અબ્રાહમે પ્રિયા રૂંચલ સાથે લગ્ન કર્યા હતા. બીજી તરફ, બિપાશા બાસુએ કરણ સિંઘ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે અને બંને પોતપોતાના જીવનમાં ખુશ છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નો જુનો ટપ્પુ ફરીથી શોમાં જોવા મળશે? મોટા સમાચાર સામે આવ્યા. લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ચૌદ વર્ષથી દર્શકોને મનોરંજન કરાવે છે. આજે પણ જો આ શો સંબંધિત કોઈ સમાચાર આવે છે તો તે ચાહકો જાણવા માટે ઉતાવળા બને છે. બધી બાજુ તેની ચર્ચા થવા લાગે છે. આ વખતે સારા સમાચાર આવ્યા છે કે જુનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી શોમાં પરત ફરી શકે છે. જો કે, તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે તે આવું કંઈપણ પ્લાન કરી રહ્યો નથી. તેના શોમાં વાપસીને લઈને જે સમાચારો સામે આવી રહ્યા છે તે બધા ખોટા છે. ભવ્યએ અફવા પર મુક્યું પૂર્ણવિરામ: એવા અહેવાલ હતા કે શોમાં નિર્માતાઓ ટપ્પુના રોલ માટે ફરી ભવ્ય ગાંધીનો સંપર્ક કરી રહ્યા છે.